નીલા સોનાણી પ્રજ્ઞાલોકની ગંગોત્રી: નીલા સોનાણી અમારો સંસાર-રથ ધીમી ગતિએ ચાલતો હતો. નીલા ભાવનગર જીલ્લા પંચાયત હસ્તકની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે પોતાની ફરજ બજાવતી હતી. કોળિયાક કન્યા શાળામાં તેમણે એક પછી એક જ્ઞાનના દીવડા પ્રગટાવવાનું શરુ કર્યું. સંગીતના સુર પદમાં વપરાયેલા શબ્દોને અનેરી ઉંચાઈ આપી રહ્યા હતા. એપ્રીલ માસ ચાલતો હતો. ભૂકંપના ભયમાંથી બહાર નિકળેલી ધોરણ છ ની દીકરીઓ "ભારતના વીર જાગો, ભારતના હો વીર" કાવ્ય કૄતિના સ્વાધ્યાયમાં પૂછવામાં આવેલા પ્રશ્નોના ઉત્તરો લખી રહી હતી. વર્ગ-ખંડમાં નીલાને આવતી જોઈ દીકરીઓ ગેલમાં આવી ગઈ. નીલાએ ગીત ઉપાડ્યું, "ભારતના વીર જાગો, ભારતના હો વીર, માતૄભૂમિના રક્ષકોને સૌ નમાવો શીર" વર્ગખંડની ચાર દિવાલો વચ્ચે અભિનયનો સૂર્ય અજવાળા પાથરી રહ્યો હતો. ગીત પુરું કરી, શિક્ષિકાએ કહ્યું, "તમે બધાં આ કાવ્યના સવાલ જવાબ લખવા ઉત્તરો શોધી રહ્યા હતા, ખરું ને!" શિક્ષિકાની વાત સાંભળી બધાં વિચારમાં પડી ગયા. બેન જોઈ શકતા નથી, તેમ છતાં તેમને શી રીતે ખબર પડી હશે? બધાં એક બીજાની સામે જોઈ રહ્યા હતા. એટલામાં શિક્ષિકાએ ખૂલાસો કર્યો, "અંતરની આંખો ખૂબ જ તેજસ્વી હોય છે, તે દૂર સુધીનું દૃશ્ય નિહાળી શકે સે. તે ભીતરમાં સળગતી ચિંતાની આગ બુજાવવા ઉર્મિનું જળ પણ વહે વહેડાવી શકે છે. તમને કાવ્યના અઘરા શબ્દો સમજવામાં મુશ્કેલી પડે છે, તે હું સમજી શકું સુ." તેમને કાવ્યનો રસાસ્વાદ કરાવી સરળ શબ્દોમાં સમજુતિ આપી. ત્યારબાદ સ્વાધ્યાયમાં આવતા સવાલોના જવાબો લખાવ્યા. હું મોટી બીમારીમાંથી બહાર આવવા મથી રહ્યો હતો. મગજમાં થયેલી ગાંઠને ઓગાળવા વપરાયેલી દવાની આડ અસરના કારણે હું અનેક બીમારીઓનો ભોગ બન્યો હતો. શાળાનું સુકાન સંભાળવું મારા માટે ઘણું પડકારજનક હતું. કાને ઓછુ સંભળાતું હોવાથી મિટિંગમાં ચર્ચાયેલા મુદ્દાઓનું તારણ કાઢી યોગ્ય નિર્ણય લેવામાં મને તકલીફ પડતી હતી. નીલાએ મને હિંમત આપી અને સહાય કરવા ટ્રસ્ટીમંડળમાં જોડાવા નિર્ણય લીધો. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓની જવાબદારી તેમણે ઉપાડી લીધી. રસોઈઘરમાં સુધારો લાવવા, રસોડામાં કામ કરતી બહેનો સાથે નિયમિત પરામર્શ કરતી હતી. પ્રજ્ઞાચક્ષુ દીકરીઓને અભ્યાસ પુરો કરી સમાજમાં સ્થાપીત થવામાં અગવડ ન પડે એટલા માટે શાળામાં હોમસાયન્સ સેન્ટર શરુ કરવા વિચાર રજુ કર્યો. મેં કહ્યું, "હોમસાયન્સ સેન્ટર ઊભુ કરવા રૂપિયા દોઢેક લાખ આપી શકે તેવા ડોનર શોધવા પડશે." તેમણે કહ્યું, "મારા મમ્મીની યાદમાં "નિષ્ઠા હોમસાયન્સ" સેન્ટર શરુ કરવા આપણા પરિવારે ડોનર બનાવવાનું સે. આવતી કાલે તમે એક લાખ એકાવન હજારનો ચેક સંસ્થાને આપી દેજો. જેથી વહેલી તકે દીકરીઓને અવનવી વાનગી શીખવા મળે." મેં કહ્યું, "રસોઈ શીખવી શકે તેવા તજજ્ઞ શોધવા પડશશે એમ ઉતાવળે આંબા ન પાકે." નીલાએ કહ્યું, "આપણે